પુત્ર અને પુત્રીએ અગ્નિદાહ આપ્યો, અને પરિવારજનો અને વડોદરાવાસીઓએ રડતી આંખે જન નેતાને વિદાય આપી હતી. યોગેશ પટેલનું ગત મંગળવાર, બે જૂનના રોજ નિધન થયું હતું. સળંગ છત્રીસ વર્ષ સુધી જનપ્રતિનિધિ તરીકે લોકચાહના મેળવનારા આ લોકનેતાની સ્મશાનયાત્રા આજે એટલે કે ચાર જૂન, ગુરૂવારના રોજ સવારે કારેલીબાગ સ્થિત 'અમદાવાદી પોળ' ખાતેના તેમના નિવાસસ્થાનેથી નીકળી, ખાસવાડી સ્મશાન પહોંચી હતી. યોગેશ પટેલ શિવ ભક્ત હતા. આ રુદ્રાક્ષ નેપાળમાં તૈયાર થઈ ગઈ છે. શિવ પરિવાર યોગેશ પટેલનો આ સંકલ્પ પૂર્ણ કરશે. યોગેશ પટેલના અવસાનથી ફરી ગુજરાત વિધાનસભા ખંડિત થઈ છે. તેઓ ઓગરીસો નેવું થી સતત આઠ ટર્મ અજેય રહીને જીવ્યા ત્યાં સુધી ધારાસભ્ય પદે રહ્યા હતા. તેમજ રૂપાણી સરકારમાં મંત્રી પણ બન્યા હતા. આ પહેલાં ઉમરેઠના ધારાસભ્ય ગોવિંદ પરમારનું છ માર્ચ, બે હજાર છવીસના રોજ અવસાન થતાં બેઠક ખાલી પડી હતી. જોકે પાંચ મેના રોજ આવેલા પેટાચૂંટણીના પરિણામો બાદ તેમના પુત્ર હર્ષદ પરમારની જીત થઈ હતી. આમ સભ્ય સંખ્યા એકસો બિયાસી થઈ ગઈ હતી, પરંતુ સત્યાવીસ દિવસમાં જ ફરી વિધાનસભા ખંડિત થઈ ગઈ છે. નિવાસ સ્થાને પાર્થિવ દેહને અંતિમ દર્શન માટે મુકાયો હતો. અંતિમયાત્રા પહેલાં માંજલપુરના ધારાસભ્ય યોગેશ પટેલના પાર્થિવ દેહને અંતિમ દર્શન માટે મુકાયો હતો. જ્યાં ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીથી લઇને મંત્રી, ધારાસભ્યો અને કોંગ્રેસના કોર્પોરેટરો અને નેતાઓએ તેમણે શ્રદ્ધાંજલિ અપર્ણ કરી હતી. અંતિમયાત્રાના રૂટ પર શ્રદ્ધાંજલિ બેનરો લાગ્યા હતા. યોગેશ પટેલના 'અમદાવાદીપોળ' ખાતેના નિવાસ સ્થાનેથી અંતિમ યાત્રા શરૂ થઈ અંદાજિત બે પોઈન્ટ ચાર કિમી સુધી નીકળી હતી. જે રૂટ પરથી અંતિમયાત્રા પસાર થઈ હતી તે આખા માર્ગ પર યોગેશ પટેલના મોટા-મોટા શ્રદ્ધાંજલિ બેનરો લગાવાયા હતા. મુસ્લિમ સમુદાય દ્વારા યોગેશ પટેલના માનમાં સ્મશાનની બહાર પાણીની સેવા શરૂ કરાઈ હતી. સેવા આપનાર મુસ્લિમ વ્યક્તિએ જણાવ્યું હતું કે, "યોગેશભાઈ ક્યારેય નાત જાત જોતા ન હતા. બધાના કામ કર્યા છે. અમારા લોક લાડીલા નેતા હતા." પુત્ર-પુત્રીએ અગ્નિદાહ આપ્યો. અંતિમયાત્રા ખાસવાડી સ્મશાન પહોંચતા પરિવારજનોએ યોગેશ પટેલના પાર્થિવ દેહની પ્રદક્ષિણા કરી, અને પુત્ર-પુત્રીએ અગ્નિદાહ આપી રડતી આંખે પરિવારજનો અને વડોદરાવાસીઓએ લોકલાડીલા નેતાને વિદાય આપી હતી. યોગેશ પટેલને શ્રદ્ધાંજલિ આપવા માટે ભાજપ-કોંગ્રેસના નેતાઓ પહોંચ્યા હતા. જ્યાં તેમણે યોગેશ પટેલની કાર્યશૈલી અને લોકસેવાને યાદ કરી હતી. જમીન સાથે જોડાયેલા વ્યક્તિ હતા. ભાજપ નેતા પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું કે "તેઓ જમીન સાથે જોડાયેલા વ્યક્તિ હતા. સતત આઠ ટર્મ સુધી તેઓ જીત્યા અને લોકોની સેવા કરી છે. કાકા અમર રહેશે, હંમેશા લોકોના દિલમાં રહેશે." સાવલીના ધારાસભ્ય કેતન ઈનામદારે જણાવ્યું હતું કે, "કાકાએ સાવલીના સ્વામીના આદેશથી સર્વેશ્વર મહાદેવની પ્રતિમા સ્થાપિત કરી છે. કાકા અમર રહેશે, હંમેશા લોકોના દિલમાં રહેશે. તેઓ સરકાર સામે પણ લોકોના પ્રશ્નો મૂકી તેનું પરિણામ લાવ્યા છે. મેં સાથી ગુમાવ્યા." ધારાસભ્ય શૈલેષ મહેતાએ જણાવ્યું હતું કે, "મેં એક સાથી ગુમાવ્યા છે. તેઓએ શહેરમાં શિવજીની વિરાટ પ્રતિમા સ્થાપિત કરી છે. તેઓની આત્માને ઈશ્વર શાંતિ અર્પે તેવી પ્રાર્થના."